હું માનું છું કે તમારામાંના મોટા ભાગનાને ખબર છે કે વધુ પડતો અવાજ તમારી સુનાવણી માટે ખરાબ છે. જ્યારે પણ તમે કોઈ કોન્સર્ટ અથવા બારમાંથી બહાર નીકળો છો અને તમારા કાનમાં રણકારા સંભળાય છે, ત્યારે તમે ચોક્કસપણે અનુભવી શકો છો કે તમારી સુનાવણીને થોડું નુકસાન થયું છે, જે સંભવિત રીતે કાયમી પણ હોઈ શકે છે. અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, અવાજ આપણી સુનાવણી સિવાય પણ ઘણી રીતે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. આ અસરો ઓછી જાણીતી છે, પરંતુ તે શ્રાવ્ય અસરો જેટલી જ જોખમી હોઈ શકે છે. તો જ્યારે આપણે અવાજ વિશે વાત કરીએ છીએ, ત્યારે તેનો અર્થ શું થાય છે? અવાજને અનિચ્છનીય ધ્વનિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેમાં બે ઘટકો હોય છે: એક ભૌતિક ઘટક, એટલે કે ધ્વનિ, અને એક માનસિક ઘટક, એટલે કે એવા સંજોગો જે તે ધ્વનિને અનિચ્છનીય બનાવે છે. તેનું એક ખૂબ સારું ઉદાહરણ રોક કોન્સર્ટ છે. રોક કોન્સર્ટમાં હાજર વ્યક્તિ લગભગ સો ડેસિબલના અવાજના સંપર્કમાં હોવા છતાં સંગીતને અવાજ તરીકે માનતી નથી. આ વ્યક્તિને બેન્ડ ગમે છે અને તેણે ટિકિટ માટે સો ડોલર ચૂકવ્યા છે. તેથી સંગીત ગમે તેટલું મોટું હોય, આ વ્યક્તિ તેને અવાજ માનતી નથી. તેનાથી વિપરીત, કોન્સર્ટ હોલથી ત્રણ બ્લોક દૂર રહેતી વ્યક્તિ વિશે વિચારો. તે વ્યક્તિ કોઈ પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ સંગીતને કારણે ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી. અને તેમ છતાં આ પરિસ્થિતિમાં ધ્વનિ દબાણનું સ્તર ઘણું ઓછું છે, આ વ્યક્તિ હજુ પણ સંગીતને અવાજ તરીકે અનુભવે છે અને તેના કારણે એવી પ્રતિક્રિયા થઈ શકે છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. તો શાંત જગ્યાઓ શા માટે એટલી મહત્વપૂર્ણ છે? કારણ કે અવાજ આપણી સુનાવણી સિવાય પણ ઘણી રીતે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. જોકે, સતત વધતા ટ્રાફિક, વધતા શહેરીકરણ, બાંધકામના સ્થળો, એર કન્ડિશનિંગ યુનિટ્સ, પાંદડાં ઉડાડવાના યંત્રો, બહારના કોન્સર્ટ અને બારો, વ્યક્તિગત મ્યુઝિક પ્લેયર્સ અને સવારે ત્રણ વાગ્યા સુધી પાર્ટી કરતા તમારા પડોશીઓને કારણે શાંત જગ્યાઓ શોધવી વધુને વધુ મુશ્કેલ બની રહી છે. અવાજની એક મહત્વપૂર્ણ અસર એ છે કે તે વાતચીતમાં ખલેલ પહોંચાડે છે. સમજી શકાય તે માટે તમારે તમારો અવાજ ઊંચો કરવો પડે છે. આત્યંતિક કિસ્સાઓમાં, તમારે વાતચીત પણ થોભાવવી પડી શકે છે. ઘોંઘાટવાળા વાતાવરણમાં ગેરસમજ થવાની સંભાવના પણ વધુ હોય છે. આ બધાં સંભવિત કારણો છે કે શા માટે અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ઘોંઘાટવાળા વિસ્તારોની શાળાઓમાં ભણતાં બાળકો શૈક્ષણિક પ્રદર્શનમાં તેમના સાથીદારોથી પાછળ રહેવાની શક્યતા વધારે ધરાવે છે. અવાજની બીજી ખૂબ જ મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય અસર એ હૃદયરોગનું જોખમ છે.